પીવાનું પાણીપીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ. વિન્ડોઝ અને એક્ઝોસ્ટ ફેનબારીઓ અને એક્ઝોસ્ટ ફેન પૂર્વ દિશામાં હોવા જોઈએ જેથી મહત્તમ કુદરતી પ્રકાશ યોગ્ય હવાના પ્રવાહ સાથે રસોડામાં પ્રવેશી શકે. ઘડિયાળઘડિયાળ રસોડામાં દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમની દિવાલ પર રાખવી જોઈએ. ઉપરાંત, ખાતરી કરો કે ઘડિયાળો હંમેશા કાર્યરત સ્થિતિમાં હોય છે. વાસ્તુ મુજબ રસોડાની સ્થિતિનો સારાંશ તમે તમારા રસોડામાં આરામદાયક અને સમૃદ્ધ રસોઈ જગ્યા બનાવાના માટે સરળ ટીપ્સનો ઉપયોગ કરી શકો છો. વાસ્તુ પ્રમાણે રસોડાની યોગ્ય સ્થિતિ તેને નકારાત્મક ઉર્જાથી દૂર રાખે છે અને ઘરમાં આનંદ લાવે છે. તે પરિવારના સભ્યો વચ્ચેના બંધનને મજબૂત કરવામાં, તેમના તકરાર અને ગેરસમજને ઘટાડવામાં પણ મદદ કરે છે. વાસ્તુ પર વધુ ઘર માટે વાસ્તુ ફર્નિચર માટે વસ્તુ નુ વાસ્તુ પાણીની ટાંકી માટે વાસ્તુ મુખ્ય દરવાજા માટે વાસ્તુ બાથરૂમ અને ટોયલેટ માટે વાસ્તુ બાળકોના રૂમ માટે વાસ્તુ ફ્રિજ માટે વાસ્તુ પૂજા રૂમ માટે વાસ્તુ બાલ્કની માટે વાસ્તુ.. ભૂમિ પૂજન મુહૂર્ત નવા કામ ના નિર્માણ માટેની શ્રેષ્ઠ તારીખો ભારતમાં, લોકો કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યને શુભ તિથિએ શરૂ કરવામાં દ્રઢપણે માને છે. આમ, ભૂમિપૂજન મુહૂર્ત તારીખનું ખૂબ મહત્વ છે કારણ કેપૂજા કોઈના ઘરનું બાંધકામ શરૂ કરવા માટેનો શુભ સમય શોધવા માટે કરવામાં આવે છે. તેઓ જે જમીન ખરીદે છે તેની સાથે લોકોનું ભાવનાત્મક મૂલ્ય જોડાયેલું હોય છેતેથી, તેઓ ખાતરી કરે છે કે તેઓ તેમના સપનાનું ઘર શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે બનાવવામાં કોઈ છટકબારી છોડતા નથી. મોટાભાગના ભારતીયો તેમની માન્યતાઓ અને કાર્યોમાં ધાર્મિક છે, અને તેઓ જે પણ કરે છે તેમાં સર્વશક્તિમાનના આશીર્વાદ મેળવવાની તેઓ હંમેશા ખાતરી કરે છે. ભૂમિપૂજન વિધિ પણ અલગ નથી. તેથી, તમે તમારા ઘરનું નિર્માણ કાર્ય શરૂ કરો તે પહેલાં, ભગવાનના આશીર્વાદ લેવાનું હંમેશા સારું છે. માટે, તમારે શ્રેષ્ઠ ભૂમિ પૂજન મુહૂર્ત તારીખો અથવાપૂજા માટે શ્રેષ્ઠ સમય જાણવાની જરૂર છે. શુભ મુહૂર્ત દરમિયાન કરવામાં આવેલ કોઈપણ કાર્ય હંમેશા શુભ ફળ આપે છે. ચાલો વિગતવાર સમજીએ કે ભૂમિ પૂજન મુહૂર્ત તારીખ કેવી રીતે પસંદ કરવી જોઈએ અને કઈ તારીખો શુભ છે. પણ વાંચોગૃહ પ્રવેશ મુહૂર્ત તારીખો માં ભૂમિ પૂજન મુહૂર્ત તારીખો માં ગૃહ નિર્માણ અથવા ભૂમિપૂજન માટે શુભ મુહૂર્ત અથવા તારીખો જાણવા માટેલેખ વાંચો. ભૂમિપૂજન શું છે? ભૂમિપૃથ્વીનો ઉલ્લેખ કરે છે, અને ભૂમિપૂજનદેવી ભૂમિ અને વાસ્તુ પુરૂષને પ્રાર્થના કરવાની હિંદુ વિધિ છે, જે દિશાઓના દેવતા છે. ભૂમિપૂજનને નીવ પૂજન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂમિ અથવા ભૂમિ પૂજન કૃષિ હેતુઓ માટે કોઈપણ બાંધકામ અથવા ખે જમીન ખેડવાનું કામ શરૂ કરતા પહેલા દેવી ભૂમિને આદર આપવા માટે